લાંબા ગાળાના રોકાણકારો માટે રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડ્સ કરતાં વધુ સારું રોકાણ કેમ બની શકે છે તેનાં કેટલાક કારણો અહીં આપ્યાં છે: સ્થાવર સંપત્તિ: રિયલ એસ્ટેટ એ એક ભૌતિક સંપત્તિ છે જેને જોઈ શકાય છે, સ્પર્શ કરી શકાય છે અને તેમાં રહી શકાય છે. તે સુરક્ષાની ભાવના પ્રદાન કરે છે અને તેનો ઉપયોગ વ્યક્તિગત અથવા વ્યવસાયિક હેતુઓ માટે થઈ શકે છે. બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડ એ નાણાકીય અસ્કયામતો છે જે અમૂર્ત હોય છે અને શેરબજારની કામગીરી પર આધાર રાખે છે. વધુમાં, રિયલ એસ્ટેટ ભાડાની મિલકતો મારફતે એક ચોક્કસ નિયમિત આવક પુરી પાડે છે, જેનું ઉંચા વળતર માટે ફરીથી રોકાણ કરી શકાય છે. મોંઘવારી સામે રક્ષમ: રિયલ એસ્ટેટ ફુગાવા સામે અસરકારક રક્ષણ આપે છે. જેમ જેમ ફુગાવો વધે છે, તેમ મિલકતના ભાવ અને ભાડાની આવક પણ વધે છે. તેનાથી વિપરીત, મ્યુચ્યુઅલ ફંડ્સ ફુગાવાના દબાણ સામે સંવેદનશીલ હોય છે, જે સમય જતાં રિટર્નમાં ઘટાડો થઇ શકે છે. કરવેરામાં લાભો: મકાન-ઓફિસ જેવી મિલકતોની ખરીદી વ્યાજ, સંપતિ વેરો, અવમૂલ્યન અને સમારકામ માટે કપાત સહિત અનેક કર લાભો આપે છે. આ લાભો રિયલ એસ્ટેટ રોકાણકારો માટે કર જવાબદારી નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડમાં મર્યાદિત કર લાભો હોય છે અને તે કેપિટલ ગેઈન ટેક્સને પાત્ર હોઈ શકે છે. વૈવિધ્યકરણ: રિયલ એસ્ટેટ રોકાણકારોને વૈવિધ્યકરણના ફાયદા પૂરા પાડે છે, કારણ કે તે પરંપરાગત એસેટ્સ ક્લાસ જેમ કે શેર અને બોન્ડ્સ સાથે ખૂબ સંકળાયેલું નથી. આનો અર્થ એ છે કે રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ સમગ્ર પોર્ટફોલિયોનું જોખમ અને અસ્થિરતાને ઘટાડી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ વિવિધતાના લાભો પણ આપે છે, પરંતુ બજારની મંદી દરમિયાન સમાન સ્તરનું રક્ષણ પૂરું પાડતું નથી.